એક ભિખારી એકવાર ગાડીમાં ચઢી ગયો. તેણે પોતાની સામે સૂટ પહેરેલા એક ધનવાન માણસને બેઠો જોયો. તેને લાગ્યું કે આ વ્યક્તિ ખૂબ જ ધનવાન લાગે છે. જો હું તેની પાસે ભીખ માંગીશ તો તે ચોક્કસ મને સારા પૈસા આપશે. તેણે તેની સામે જઈને હાથ લંબાવ્યો. ભિખારીને જોઈને શેઠે કહ્યું, "તમે હંમેશા બીજાઓ પાસેથી કંઈક માગો છો, પણ શું તમે ક્યારેય કોઈને કંઈ આપો છો? " ભિખારીએ કહ્યું, "સાહેબ, હું ભિખારી છું, હું હંમેશા લોકોને પૂછતો રહું છું. મારી સ્થિતિ ક્યાં છે કે હું કોઈને કંઈક આપી શકું? " "જ્યારે તમે કોઈને કંઈક આપી શકતા નથી, ત્યારે તમને માંગવાનો કોઈ અધિકાર નથી. હું એક વેપારી છું અને ફક્ત વ્યવહારોમાં વિશ્વાસ રાખું છું. જો તમારી પાસે મને આપવા માટે કંઈક હશે, તો હું તમને બદલામાં કંઈક આપીશ." આટલું કહીને શેઠ પોતાના સ્ટેશન પર ઉતરી ગયો. અહીં ભિખારી શેઠે જે કહ્યું હતું તેના વિશે વિચારવા લાગ્યો. શેઠે બોલેલા શબ્દો ભિખારીના હૃદયમાં ઉતરી ગયા. તે વિચારવા લાગ્યો કે ભીખ માંગવાથી મને વધારે પૈસા મળતા નથી કારણ કે હું બદલામાં કોઈને કંઈ આપી શકતો નથી. ખૂબ વિચાર કર્યા પછી, તેણે નક્કી કર્યું કે જે કોઈ તેણે ભીખ આપશે, તે ચોક્કસપણે બદલામાં કંઈક આપશે. બીજા દિવસે, જ્યારે તે સ્ટેશન પાસે બેઠો હતો, ત્યારે તેની નજર સ્ટેશનની આસપાસના ઝાડ પર ખીલેલા કેટલાક ફૂલો પર પડી. તેણે વિચાર્યું, હું લોકોને ફૂલો કેમ ન આપું? તેને તેનો વિચાર ગમ્યો અને તેણે ત્યાંથી કેટલાક ફૂલો લીધા. તે ભીખ માંગવા ટ્રેનમાં ગયો. જ્યારે કોઈ તેમને ભીખ આપતું, ત્યારે તેઓ તેમને થોડા ફૂલો આપતા. થોડા દિવસોમાં, તેણે જોયું કે હવે ઘણા લોકો તેણે ભીખ આપ્યા રહ્યા છે. તે સ્ટેશન પાસેના બધા ફૂલો ચૂંટતો હતો. જ્યાં સુધી તેની પાસે ફૂલો હતા, ત્યાં સુધી ઘણા લોકો તેને ભીખ આપતા. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે તે એ જ શેઠ હતો જે ટ્રેનમાં બેઠો હતો, જેનાથી તેને ભિક્ષા મળે ત્યારે ફૂલો આપવાની પ્રેરણા મળી. તે તરત જ તે વ્યક્તિ પાસે ગયો અને કહ્યું, "આજે મારી પાસે થોડા ફૂલો છે, તું પણ મને ભીખ આપ, હું બદલામાં તને થોડા ફૂલો આપીશ." શેઠે તેને ભિક્ષા તરીકે થોડા પૈસા આપ્યા અને ભિખારીએ તેને થોડા ફૂલો આપ્યા. તે શેઠને આ વાર્તા ખૂબ ગમી. શેઠ: – "વાહ, શું વાત છે? આજે તું પણ મારી જેમ બિઝનેસમેન બની ગયો છે. " આટલું કહીને તે સેઠ સ્ટેશન પર ઉતરી